શાર્દુલની ફિટનેસ પર સવાલો યથાવત ટીમમાં સામેલ શાર્દુલ ઠાકુર સંપૂર્ણપણે ફિટ નથી. તે કેકેઆર માટે ત્રણ મેચ રમ્યો ન હતો અને હાલ ટીમમાં પરત ફર્યો છે. જોકે તે હજુ પણ બોલિંગ કરી રહ્યો નથી. ટીમ ઇન્ડિયા માટે આ સારા સમાચાર નથી. ઉમેશ પણ કેકેઆરનો એક ભાગ છે અને હાલમાં હેમસ્ટ્રિંગથી પરેશાન છે. ઈંગ્લેન્ડની પિચો પર ફાસ્ટ બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. આ કારણે ઉમેશની ઈજા ટીમ ઈન્ડિયા માટે પરેશાનીનું કારણ છે.: ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન જ્યારે તે મેદાન પર પડી ગયો ત્યારે તેને ઈજા થઈ હતી. જયદેવ ઘણો દર્દમાં જોવા મળતો હતો. સોમવારે આરસીબી સામેની મેચમાં સ્ટાર ખેલાડી કેએલ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયો છે. ફિલ્ડિંગ દરમિયાન બોલ તેના પગમાં વાગ્યો હતો. જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐય્યર અને ઋષભ પંતની ગેરહાજરીથી ટીમ ઇન્ડિયા પહેલાથી જ ઘણી પરેશાન છે, આવી સ્થિતિમાં ટીમમાં સામેલ ખેલાડીઓની ઇજા તેમની મુશ્કેલીઓમાં વધારો કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતની ટેસ્ટ ટીમ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.